ઝેર બહાર આવતાં રાજકુમારીને તો રાહત થઈ, પણ વીર ભાન રહ્યુ ત્યાં સુધી ચૂસતાં-ચૂસતાં જ બેહોશ બનીને પગમાં જ ઢળી પડ્યો. એક મુખ્ય સૈનિકે હુકમ કરતાં તરત જ થોડાં ભાનમાં રહેલાં રાજકુંવરીને પાલખીમાં બેસાડી ઉંચકીને સૈનિકો વસુંધરાને બોલ્યાં,"આપ જલ્દીથી રથમાં બિરાજો, રાજકુંવરીને તરત જ રાજવૈદ્ય જોડે પહોંચાડી દઈએ." આ તરફ બેભાન બનેલા વીરને નિહાળતી વસુંધરા બોલી,"આને પણ લઈ લ્યો મારી પાલખીમાં મારાં રથમાં." સૈનિક બોલ્યો,"રાજકુમારી આ વીરને રાજમહેલ લઈ જવો શું યોગ્ય કહેવાશે?" વસુંધરા બોલી,"હા રાજમાતાને અને મહારાજને હું વાત કરીને સમજાવીશ. બસ જલ્દી કરો આ બેહોશ વીરને ઉપાડો." વસુંધરાનાં હુકમને માન આપીને સૈનિકો બેહોશ વીરને પણ ઉંચકીને રથમાં મૂકીને ચાલવા લાગ્યાં. બે કલાકની વસમી રણની ધૂળનો રસ્તો કાપ્યા બાદ ઝીંઝુવાડાનો સમચોરસ અદભુત ગઢ દેખાયો. સમસ્ત કાઠિયાવાડની ભૂમિનો આ એકમાત્ર મજબૂત યુદ્ધ માટેનો કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ત્રિભેટે આવેલ વ્યૂહાત્મક ગઢ હતો. રાજચિહ્ન બતાવ્યા બાદ કડડડ કરતાં ગઢનાં દરવાજા ખુલ્યાં, અને અંદર પ્રવેશતાં જ નગરમાં હાહાકાર મચી ગયો. રાજાની વ્હાલી રાજકુંવરીને કાળોતરા નાગે દંશ દીધો હોવાના સમાચાર નગરમાં ફેલાઈ ગયાં. રાજવૈદ્ય મહેલમાં ઉપસ્થિત હતાં, અને મહારાજ, મહારાણી, અને રાજમાતાં અપલક આસુંભર્યા નયને રાજવૈદ્યની શુભવાણી સાંભળવા આતુર હતાં. હવે પુરી નાડી તપાસીને રાજવૈદ્ય બોલ્યાં,"મહારાજ આ ઔષઘીના પારખું યુવાને જ રાજકુંવરીનો જીવ બચાવ્યો છે. તેને આપેલ જડીબુટ્ટી ખુબ જ દુર્લભ છે. આ કાળોતરો કરડે તો કોઈ બચી જ શકે નહીં, પણ આ યુવાનની ઉત્તમ આવડત અને જડીબુટ્ટીના પ્રભાવથી રાજકુંવરી ત્રણ દિવસમાં સ્વસ્થ બની જશે." મહારાજ વિજયદેવ અતિ હર્ષિત થઈને રાજવૈદ્યને મહામૂલી ભેટ આપતાં બોલ્યાં,"ધન્યવાદ રાજવૈદ્યજી." મહારાજ ધન્યવાદ આ બેહોશ જુવાનને કહેશો તો યોગ્ય ગણાશે. જુવો તેને પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની શક્તિથી કુંવરીનું ઝેર ચૂસી પોતે બેહોશ બની ગયો છે. તે કયારે ભાનમાં આવે તે નકકી નહીં. તેની આપેલ જડીબુટ્ટી જ તેને ત્રણ સમય તેની આખરી સૂચના મુજબ આપતાં રહેજો. કદાચ ઈશ્વરકૃપાથી આ દયાળુ જુવાન બચી જાય." સાંભળીને વસુંધરાની આંખમાં આંસું આવી ગયાં. મહારાજ પણ દુખી થતાં બોલ્યાં,"આ યુવાન વીરની રાજમહેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે, અને તેની ખુબ કાળજી અને સાર સંભાળ રાખવામાં આવે." વસુંધરા બોલી,"મહારાજ મને આ ઔષધિ પીવડાવવાની તેણે સૂચના આપી છે. જો આપની આજ્ઞા હોય તો હું તેની સંભાળ રાખી શકું?" "અવશ્ય. તમારી સહેલીનો જીવ બચાવનારની કાળજી રાખવી આપના માટે યોગ્ય છે." કહીને મહારાજ રાજકુમારીને રાણીમાના કક્ષમાં સાથે લઈ ગયાં અને વીરને સુલોચનાના કક્ષની પાસે મહેમાન કક્ષમાં